પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે. પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે. કૂતરાં રંગ પારખી નથી શકતાં અને 'શોર્ટ સાઈટેડ હોય છે. તમને દૂરનું દેખાતું નથી. મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે 'મગરનાં આંસુ' રૂઢિપ્રયોગ વપરાય છે. જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે. કેટલાક જીવજંતુ વાળથી સામ સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વન વન વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશ તેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર ઈયળ આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર વાળ આવેલા છે જે કાનની ગરજ સારે છે. લીલા રંગનો તીતીઘોડો સુપરસો સોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે. લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે. કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે, જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે. દીપડો પોતાના શિકારને સીકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી. વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધારાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે. દક્ષિણ યુરોપમાં લગભગ કિ. મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી. પ્રાચીન વિશ્વનાં સ્થડા સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે છપ્પન સો માં આ સ્થલની સ્થાપના કરી હતી. ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીને નામ કુશલસ્થલી છે. વર્તમાન પૂર્વે છ હજાર ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર અનન્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછળ થી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું, જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે. વિશ્વમાં ટુંકા નામની એક લાંબા નામની બોલબાલા છે. ફ્રાંસમાં 'ઈ' નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર 'ઉ' નામનું ગામ આવેલું છે. જાપાનમાં 'ઓ' નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને